ભાસ્કરની દરિયાગંજથી લઈને ગાજીપુર સુધીની આ તપાસથી જાણવા મળ્યું કે, પહેલાં જ્યાં કોડ વર્ડ, ચિઠ્ઠીઓ અને રોકડ દ્વારા પૈસા એક દેશથી બીજા દેશ પહોંચતા હતા, ત્યાં હવે એ જ ખેલમાં ઉપયોગ થઈ રહ્યો છે. ફરક માત્ર એટલો જ છે કે પહેલાં હવાલાના પૈસા બેગ અને રોકડ દ્વારા ફરતા હતા, હવે એ જ રકમ ડિજિટલ વોલેટ દ્વારા સરહદ પાર પહોંચાડવામાં આવી રહી છે. ક્રિપ્ટોને દુનિયામાં ગમે ત્યાં સરળતાથી મોકલી શકાય છે. દિલ્હી પોલીસના વિનીત કુમાર કહે છે કે, "સાયબર ફ્રોડ કે ગેરકાયદેસર રીતે મેળવેલા પૈસાના કેસોમાં રકમ પહેલાં હવાલા ઓપરેટર્સ પાસે જાય છે. આ પછી હવાલા ઓપરેટર્સ રોકડને ક્રિપ્ટોમાં બદલે છે." ઇન્ટરનેટ પર એવા કેટલાય પ્લેટફોર્મ હાજર છે, જ્યાં રોકડ આપીને ક્રિપ્ટો ખરીદી શકાય છે. એકવાર ક્રિપ્ટો તમારી પાસે આવી જાય તો તેને દુનિયામાં ગમે ત્યાં સરળતાથી વ્યક્તિ મોકલી શકે છે. કેટલીય જગ્યાઓ પર ક્રિપ્ટોથી પ્રોપર્ટી પણ ખરીદવામાં આવી રહી છે. કેટલાય એવા વોલેટ છે, જેમાં બેંક ની જરૂર હોતી નથી. ટ્રસ્ટ વોલેટ જેવા પ્લેટફોર્મ માફિયાઓ વચ્ચે ખૂબ લોકપ્રિય છે. જોકે આવા બીજા પણ કેટલાય વોલેટ છે, જેમાં વિના ટ્રાન્સફર શક્ય છે. સરકાર ઈચ્છે છે કે, લોકો એવા ક્રિપ્ટો પ્લેટફોર્મ વાપરે જ્યાં યુઝરની ઓળખ નોંધાયેલી હોય. વોલેટ્સને બંધ કર્યા વગર આ નેટવર્ક પર સંપૂર્ણ રોક લગાવવી મુશ્કેલ છે. હવે હવાલા પાડવા સરળ બની ગયું, ટ્રેક કરવું મુશ્કેલ. બીજી તરફ, સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલ કહે છે કે, "ભારત સરકારે ક્રિપ્ટોકરન્સીને લઈને સ્પષ્ટ કાયદો બનાવ્યો નથી. હાલમાં સરકારે માત્ર એટલું નક્કી કર્યું છે કે ક્રિપ્ટો ખરીદવા કે વેચવા પર ત્રીસ ટકા ટેક્સ આપવો પડશે. આ છતાં ક્રિપ્ટોને કાનૂની ચલણ કે કાનૂની સંપત્તિનો સંપૂર્ણ દરજ્જો મળ્યો નથી." ક્રિપ્ટો પછી હવાલા પહેલા કરતાં કેટલાય ગણું સરળ થઈ ગયું છે, અને તેને ટ્રેક કરવું મુશ્કેલ. સાયબર ગુનેગારો અને હવાલા એજન્ટો માટે ક્રિપ્ટો એક પ્રકારે 'સેફ હેવન' બની ચૂક્યું છે. તપાસ એજન્સીઓ સામે સૌથી મોટી સમસ્યા એ છે કે મોટાભાગના ક્રિપ્ટો પ્લેટફોર્મ અને સર્વિસ પ્રોવાઈડર્સ ભારતની બહાર આવેલા છે. એવામાં ભારતીય એજન્સીઓને માહિતી મેળવવામાં મુશ્કેલી પડે છે અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓની આખી ચેન જોડવી પડકારજનક બની જાય છે. પોલીસે હોટલ પર દરોડો પાડ્યો. અહીંથી સુલ્તાન સલીમ શેખ, સૈયદ અહમદ ચૌધરી, તુષાર માલિયા અને સતીશ કુમાર નામના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે હવાલા ચેનલો દ્વારા આ રકમની મની લોન્ડરિંગ કરવામાં આવતી હતી. રોકડના બદલામાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા.